એક માણસે જંગલમાં એક વૃદ્ધ પક્ષીને પકડ્યું હતું. વૃદ્ધ પક્ષીએ કહ્યું: હું કોઈના કામનો નથી, મારું શરીર થાકી ગયું છે, મારું જીવન સમાપ્ત થવાનું છે, હું ગીતો ગાઈ શકતો નથી, અને મારા અવાજમાં મીઠાશ નથી, મને લઈ જઈને તમે શું કરશો? પણ જો તમે મને જવા દેવા માટે સંમત થાઓ છો, તો હું તમને જીવન વિશે ત્રણ સૂત્રો કહી શકું છું. તે માણસે કહ્યું: હું કેવી રીતે ખાતરી કરી શકું કે હું તમને જવા દઈશ અને તમે મને સૂત્રો કહેશો કે નહીં? પક્ષીએ કહ્યું: હું તમને પહેલું સૂત્ર તમારા હાથમાં હશે ત્યારે કહીશ. અને જો તમને સોદો કરવાનું મન થાય, તો તમે મને જવા દઈ શકો છો. હું તમને બીજું સૂત્ર ઝાડની ટોચ પર બેસતી વખતે કહીશ. અને હું તમને ત્રીજું સૂત્ર ત્યારે જ કહી શકું છું જ્યારે હું આકાશમાં ઊંચે ઉડીશ. તે એક વૃદ્ધ પક્ષી હતું, તેના અવાજમાં ખરેખર કોઈ મીઠાશ નહોતી, તે બજારમાં પણ વેચાઈ શકતું ન હતું. અને તેના દિવસો પણ લગભગ પૂરા થઈ ગયા હતા, તે લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તેને પકડી રાખવાની કોઈ જરૂર નહોતી. શિકારીએ પક્ષીને કહ્યું: ઠીક છે, હું શરત સ્વીકારું છું. તમે મને પહેલું સૂત્ર કહો. પક્ષીએ કહ્યું: મેં જીવનમાં એવા લોકોને નાખુશ જોયા છે જે ભૂતકાળને ભૂલતા નથી. અને મેં એવા લોકોને આનંદથી ભરેલા જોયા છે જે ભૂતકાળને ભૂલી જાય છે અને વર્તમાનમાં જીવે છે, આ પહેલું સૂત્ર છે. વસ્તુ ઉપયોગી અને મૂલ્યવાન હતી. માણસ પક્ષીને છોડી ગયો. પક્ષી ઝાડ પર બેઠો અને માણસે પૂછ્યું, બીજું સૂત્ર? પક્ષીએ કહ્યું: બીજું સૂત્ર એ છે કે વ્યક્તિએ ક્યારેય એવી કોઈ વસ્તુ પર વિશ્વાસ ન કરવો જોઈએ જે તર્કની વિરુદ્ધ હોય, જે વિચારની વિરુદ્ધ હોય, જે સામાન્ય સમજના નિયમોની વિરુદ્ધ હોય, વ્યક્તિએ ક્યારેય તેમાં વિશ્વાસ ન કરવો જોઈએ, જે વ્યક્તિ તેમાં વિશ્વાસ કરે છે તે ભટકી જાય છે. પક્ષી આકાશમાં ઉડ્યું. ઉડતી વખતે તેણે કહ્યું: હું તમને ઉડતી વખતે એક વાત કહી દઉં, આ ત્રીજું સૂત્ર નથી, તે ફક્ત એક સમાચાર છે જે હું તમને આપવા માંગુ છું. તમે મને છોડીને ગંભીર ભૂલ કરી છે. મારા શરીરમાં બે કિંમતી હીરા હતા. જો તમે મને મારી નાખ્યો હોત, તો તમે આજે અબજોપતિ બની ગયા હોત. તે માણસ ખૂબ જ દુઃખી થઈ ગયો. તે ખૂબ જ ચિંતિત થઈ ગયો. પણ પક્ષી આકાશમાં ઉડી ગયું હતું. તેણે ઉદાસ, પરાજિત અને ડરેલા મન સાથે કહ્યું: વાંધો નહીં, પણ ઓછામાં ઓછું મને